ઠીક છે. બીજી ટીપ. આ ખરેખર મહત્વપૂર્ણ છે. કૃપા કરી અસ્વીકરણ, માફી અને લાંચ ટાળો. ખરેખર મહત્વપૂર્ણ. શું આમાંથી કોઈ અવાજ પરિચિત છે? મને માફ કરશો કે મારે આ માટે તમને પૂછવું પડશે. હું તમને આની સાથે પરેશાન કરવાથી ખરેખર ધિક્કારું છું. જો મારી પાસે તમારી સહાય વિના આ કરવાની કોઈ રીત હોત, તો હું કરીશ. કેટલીકવાર એવું લાગે છે કે લોકો સાબિત કરવા માટે ખૂબ ઉત્સુક છે જ્યારે તેઓ તમારી મદદ માટે પૂછે છે ત્યારે તેઓ નબળા અને લોભી નથી, તેઓ સંપૂર્ણપણે ચુકી ગયા છે, તેઓ અસ્વસ્થ છે તેઓ તમને અનુભૂતિ કરાવે છે. અને એમ પણ હું તમને સહાય કરવામાં સંતોષકારક કેવી રીતે માનું જો તમને મદદ માટે મને પૂછવાથી ખરેખર નફરત હોય તો? અને જ્યારે તે સંપૂર્ણ છે, સંપૂર્ણપણે સ્વીકાર્ય છે તમારા માટે વસ્તુઓ કરવા માટે અજાણી વ્યક્તિને પૈસા ચૂકવવા, જ્યારે તે પ્રોત્સાહન આપવાની વાત આવે ત્યારે તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે તમારા મિત્રો અને સહકાર્યકરો. જ્યારે તમે કોઈની સાથે સંબંધ બાંધશો, એક બીજાને મદદ કરવી એ ખરેખર તે સંબંધનો એક કુદરતી ભાગ છે. આપણે કાળજી રાખીએ છીએ તે એક બીજાને કેવી રીતે બતાવીશું. જો તમે તેમાં પ્રોત્સાહનો અથવા ચુકવણીઓ દાખલ કરો છો, શું થઈ શકે છે, એવું લાગે છે કે તે સંબંધ નથી, તે વ્યવહાર છે. અને તે ખરેખર અંતર તરીકે અનુભવાય છે જે વ્યંગાત્મક રીતે લોકોને તમારી મદદ કરવાની સંભાવના ઓછી બનાવે છે. તેથી એક સ્વયંભૂ ભેટ તમને મદદ કર્યા પછી તમારી પ્રશંસા અને કૃતજ્ઞતા બતાવવા માટે સંપૂર્ણ સરસ તમારા નવા એપાર્ટમેન્ટમાં જવા માટે મદદ કરતા તમારા શ્રેષ્ઠ મિત્રને ચૂકવણી કરવાની ઓફર નથી. ઠીક છે. અને મારો ખરેખર આ એક અર્થ છે, કૃપા કરીને મદદ માટે પૂછશો નહીં ઇમેઇલ અથવા ટેક્સ્ટ ઉપર. ખરેખર, ગંભીરતાથી, કૃપા કરીને નહીં. ઇમેઇલ અને ટેક્સ્ટ અંગત છે. મને ખ્યાલ છે કે કેટલીક વાર કોઈ વિકલ્પ નથી પરંતુ મોટે ભાગે જે થાય છે તે આપણને મદદ માંગવી ગમે છે ઇમેઇલ અને ટેક્સ્ટ ઉપર કારણકે આપણને આમ કરવું ઓછું ત્રાસદાયક લાગે. તમે જાણો છો કે ઇમેઇલ અને ટેક્સ્ટ કરતા બીજું શું ઓછું ત્રાસદાયક લાગે? તમને ના કહેતા. અને તે બહાર આવ્યું છે. આને ટેકો આપવા સંશોધન છે. તેથી જ્યારે કંઈક ખરેખર મહત્વનું હોય અને તમને ખરેખર કોઈની સહાયની જરૂર હોય, વિનંતી કરવા માટે રૂબરૂ સમય બનાવો અથવા તમારા ફોનનો ઉપયોગ ફોન તરીકે કરો તમને જોઈતી મદદ માટે પૂછવા બરાબર.